એક વ્યક્તિ ને બીજી કોઈ વાતની ખાસ ભૂખ ન હતી, પરંતુ નામ ની ભૂખ ખુબ જ હતી! તેની પાસે ધન એટલું હતું કે તેને સંભાળવુ પણ કઠિન હતું. ધનની ભૂખ ન હતી. મીઠાઈઓ ખાઇ ખાઇ ને ઉબાઈ ચુક્યો હતો. મીઠાઈ ની ભૂખ ન હતી. સંસારના વિભિત્ર સુખો નો ખુબ જ ઉપભોગ કરી લીધો હતો. તેની પ્યાસ પણ બુઝાઈ ગઈ હતી. એ ફક્ત નામની પાછળ જ ગાંડો થયો ગાંડો હતો. કોઈપણ રીતે દુનિયામાં પ્રસિદ્ધ બનવું એજ એની એક માત્ર ઈચ્છા હતી. પરંતુ તેને કોઈ રસ્તો મળી રહ્યો ના હતો. તેને થયું કે સંતનું માર્ગદર્શન તેની ઇચ્છા પુરી કરવા માટે ઉપયો ઉપયોગી બની બનશે. તે દોડીને સંત પાસે ગયા. શિષ્ટાચાર થી વંદન કર્યા અને કહ્યું, "બાબા! મને રસ્તો બતાવો, ગમે-તેમ કરીને મારુ દુનિયામાં નામ ફેલાય, હું જગતવિખ્યાત બનું. " સંતે ગંભીર બનીને કહ્યું, "નામ ફેલાઈ શકે છે. કોય જ કઠિન નથી. તેમાં કોઈ ખાસ વાત નથી. તારું કોઈ નામ હોય તો બતાવ. " તે વ્યક્તિ ખુશ ખુશીના માર્યા ફુલાય ફૂલ્યો ના સમાયો, અને કહ્યું, "મારુ નામ અમુકચંદ્ર છે! " સંતે કહ્યું, "આ નામ તારું ક્યાં છે? શરીરનું છે. " વ્યક્તિ: "શરીર અને હું એક જ નથી? શરીર નું નામ એજ મારુ નામ. મારુ નામ એજ શરીરનું નામ! " સંત: "જરા શાંત ભાવનાથી વિચાર. જન્મ પહેલાં પણ તું હતો, મૃત્યુ પછી પણ તું હોય હોઈશ . જન્મ થી પેહલા તારું આ નામ ન હતું. મૃત્યુ પછી પણ તારું આ નામ નહિ રહે અત્યારે જે શરીર છે તેનું આ નામ છે. શરીરના નામને પોતાનું નામ માનવું ભૂલ છે. શરીર માત્ર માટી છે, અને એક દિવસ માટી માં ભળી જશે! રાખ બની જશે. તું માટી કે રાખનું નામ ફેલાવવા માંગે છે. તારું તો કોઈ નામ જ નથી. દુનિયામાં કોઈકનું કોઈક નામ નથી. બધાજ નામ શરીરના છે, માટીના છે. બધા અમનામી છે! " આ સાંભળી વ્યક્તિ ચમકી ગયો, વિચારમાં પડી ગયો, તેની પાસે આ વાતનો કોઈ જવાબ ન હતો, અને બોલ્યો, "તમે તો સમસ્યા ઉભી કરી દીધી. હું સમજી ગયો, મારું કોઈ નામ નથી, ખરેખર ના નામે તો શરીર નુ જ છે! તો પણ નામના મેળવવાની ભૂખ તીવ્રતાથી ખૂંચી રહી છે. એને કેવી રીતે શાંત કરું? તમે જ કોઈ યોગ્ય રસ્તો બતાવો! " સંત: "ભૂખને શાંત કરાવે છે તો ભૂખને જોવાનો અભ્યાસ કરો. ભૂખ તારામાં નથી મન માં છે! તું મન થી, તું એનાથી અલગ છે. મન અને મનની ભૂખ અલગ છે. ભૂખ જ્યાં ઉભી થાય છે તેને